ખરેખર, અહીંની એક હોસ્પિટલની નર્સ મેનેજરે કોરોનાની રસી લીધાના થોડી મિનિટો પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેહોશ થઈને ઢળી ગઈ હતી. પ્રેસ બ્રીફિંગ દરમિયાન નર્સ બેહોશ થઈ ગઈ આ નર્સને ફાઇઝર બાયોનોટેકની કોવિડ રસી આપવામાં આવી હતી. જે બાદ તે ખુશીથી લાઇવ ટીવી શોમાં ઇન્ટરવ્યુ આપી રહી હતી. પરંતુ અચાનક તેને ચક્કર આવવા લાગ્યાં. પ્રસંગે હાજર લોકો કંઈપણ સમજે તે પહેલાં, ટિફની ડોવર નામની આ નર્સ ઇન્ટરવ્યૂ આપતી વખતે બેભાન થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. તે આ વીડિયોમાં કહે છે કે અમારો આખો રસ્તો આ રસીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અમે કોવિડ એકમ છીએ, તેથી મારી ટીમને પહેલાં આ રસીનો ઉપયોગ કરવાની તક મળી. આ પછી, તે આ વિડિઓમાં થોડી અસ્વસ્થ લાગે છે અને કહે છે કે મને ચક્કર આવે છે. ટિફનીએ ખૂબ કહેતા તેમનું સંતુલન ગુમાવ્યું. અહેવાલો અનુસાર, ટિફની કોરોના રસી લીધાના મિનિટ પછી બેહોશ થઈ ગઈ હતી. ડોક્ટરોએ આ કારણ આપ્યું હતું જોકે, આ કિસ્સામાં, ડોકટરો કહે છે કે, આ કોરોના રસી સાથે જોડાયેલી નથી અને તેમની એક શરત છે કે જ્યારે પણ તેમને ખૂબ પીડા થાય છે, ત્યારે તેઓ ચક્કર આવે છે. તે જ સમયે નર્સ મેનેજરે કહ્યું કે, મને અચાનક લાગ્યું કે મારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે જ્યારે હું એકદમ ઠીક લાગું છું અને મારા હાથનો દુખાવો પણ દૂર થઈ ગયો છે.